અમારો પ્રોજેક્ટ મશીન લર્નિંગની શક્તિનો ઉપયોગ કરવાનો છે એન્ટિબાયોટિક શસ્ત્રાગારને ફરીથી ભરવા અને વૈશ્વિક સ્તરે વિનાશક એન્ટીબાયોટીક યુગને ટાળવા. મહત્વનું છે કે, સમાન તકનીકનો ઉપયોગ કરી શકાય છે એન્ટિવાયરલ સંયોજનો શોધવા માટે જે આપણને વર્તમાન રોગચાળા સામે લડવામાં મદદ કરી શકે છે. મશીન લર્નિંગ ડ્રગ શોધવા પરંપરાગત મોડેલને ફેરવી રહી છે. તેના માથા પર. અમને પેહેલે, પહેલેથી જ પ્રારંભિક સફળતા મળી છે. તાજેતરમાં, અમે નવી એન્ટિબાયોટિક્સ શોધવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કર્યો જે આપણને બેક્ટેરિયાના ચેપ સા સામે લડવામાં મદદ કરી શકે છે જે સાર્સ-કોવ-બે ચેપ સાથે થઈ શકે છે. બે મહિના પહેલા, ટેડના પ્રેક્ષક પ્રોજેક્ટે અમારા માટે નાણાંની મંજૂરી આપી અમારા કામ મોટા પાયે કરવા એન્ટિબાયોટિક્સના સાત નવા વર્ગોની શોધના લક્ષ્ય સાથે વિશ્વના સાત જીવલેણ બેક્ટેરિયા પેથોજેન્સ સામે આગામી સાત વર્ષમાં. સંદર્ભ માટે: એન્ટિબાયોટિક્સના નવા વર્ગની સંખ્યા જે છેલ્લા ત્રણ દાયકામાં મળી આવ્યા છે તે શૂન્ય છે. જ્યારે નવી એન્ટિબાયોટિક્સ માટેની શોધ આપણા મધ્યમ-અવધિના ભવિષ્ય માટે છે, નોવેલ કોરોનાવાયરસ તાત્કાલિક જીવલેણ ભય છે, અને અમને લાગે છે કે આપણે સમાન તકનીકનો ઉપયોગ કરી શકીએ છીએ આ વાયરસ સામે લડવા માટે ઉપચારની શોધ કરવા. તો આપણે તે કેવી રીતે કરીશું? સારું, અમે સંયોજન તાલીમ પુસ્તકાલય બનાવી રહ્યા છીએ, અને સહયોગીઓ સાથે આ અણુઓને સોર્સ-કોવી-બે ચેપગ્રસ્ત કો ક્રોસો પર લાગુ કરવા સાથે તેમાંથી કઈ અસરકારક પ્રવૃત્તિ દર્શાવે છે તે જોવા માટે. આ માહિતીનો ઉપયોગ મશીન લર્નિંગ મોડેલને તાલીમ આપવા માટે કરવામાં આવશે જે એક અબજથી વધુ પરમાણુઓની સિલિકો લાઇબ્રેરી પર લાગુ કરવામાં આવશે સંભવિત નોવેલ એન્ટિવાયરલ સંયોજનો શોધવા માટે. અમે ટોચની આગાહીઓનું સંશ્લેષણ અને પરીક્ષણ કરીશું અને ક્લિનિમાં સૌથી વધુ આશાસપ્રદ ઉમેદવારોને આગળ કરશું. વાત સાચી લાગે છે? સારું, તે ન જોઈએ. એન્ટિબાયોટેક્સ એઆઈ પ્રોજેક્ટની સ્થાપના અમારા સંશોધન પર કરવામાં આવી છે જેનાથી નોવેલ બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટીબાયોટીકની શોધ થઈ હેલિસિન નામની.. હેલિસિનમાં તીવ્ર એન્ટિબેક્ટે બેક્ટેરિયલ પ્રવૃત્તિ છે, લગભગ તમામ એન્ટીબાયોટીક-પ્રતિરોધક બેક્ટેરિયા પેથોજેન્સ સામે, અસહ્ય પર્યાપ્ત ચેપ સહિત. મહત્વનું કે, વર્તમાન એન્ટીબાયોટીક્સથી વિપરીત, આવર્તન કે જેના પર બેક્ટેરિયા હેલિસિન સામે પ્રતિકાર વિકસાવે છે જે નોંધપાત્ર રીતે ઓછી છે. અમે હેલિસિન સામે પ્રતિકાર વિકસિત કરવાની બેક્ટેરિયાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું છે તેમજ લેબમાં સિપ્રો. સિપ્રોના કિસ્સામાં, માત્ર એક દિવસ પછી, અને પ્રતિકાર જોયો. હેલિસિનના કિસ્સામાં, એક દિવસ પછી, અમે કોઈ પ્રતિકાર જોયો નહીં. આશ્ચર્યજનક રીત, દિવસ પછી પણ, અમને હેલિસિન સામે કોઈ પ્રતિકાર જોવા મળ્યો ન હતો. આ પાયલોટ પ્રોજેક્ટમાં, અમે પ્રથમ ઇ કોલી સામે આશરે સંયોજનોનું પરીક્ષણ કર્યું. આ તાલીમ સમૂહમાં જાણીતા એન્ટીબાયોટીક્સ,